અરોવાના માછલી આને ડ્રેગન ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને માછલીઘરો માટે સૌથી વધુ પસંદગીની ફેંગ શુઇ માછલીઓમાંની એક છે. અરોવાના માછલી ફેંગ શુઇમાં સંપત્તિ, શક્તિ, આરોગ્ય અને સુખનું પ્રતીક છે. માછલી એક લુપ્તપ્રાય પ્રજાતિ હોવાથી તેને ખરીદવા અને જાળવવા માટે ખૂબ ખર્ચાળ છે. કાળી પૃષ્ઠભૂમિ સાથે અરોવાના ફેંગ શુઇ માછલી ફેંગ શુઇ અને ફેંગ શુઇ હોમ શું છે, નસીબ અને સમૃદ્ધિ માટે ફેંગ શુઇ વસ્તુઓ, તમારા ઘરનો એક ભાગ બનાવવા માટે ફેંગ શુઇ પ્રતીકો, તમારા ઘરમાં ફેંગશુઈ ફ્રોગના ફાયદા, શહેરી ઘરો માટે ટોચના ફેંગ શુઇ પેઇન્ટિંગ્સ, વાંસ ફેંગ શુઇ ડિઝાઇન ટિપ્સ, ફેંગ શુઇ અનુસાર ટોચના મની પ્લાન્ટ લાવો, બ્લેક મૂર માછલી માછલીઘરમાં રાખવા માટે શ્રેષ્ઠ ફેંગ શુઇ માછલીઓમાંની એક માનવામાં આવે છે કારણ કે આ માછલી તમારા ઘરની તમામ સંભવિત નકારાત્મક અસરોને દૂર કરશે અને તેના બદલે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરશે. ટેન્કમાં સ્વિમિંગ કરતી બ્લેક મૂર ફેંગ શુઇ માછલીગોલ્ડ ફિશ શ્રેષ્ઠ ફેંગ શુઇ માછલી વિશે વાત કરતી વખતે, ગોલ્ડફિશસૌથી વધુ આર્થિક, વારંવાર અને સીધી પસંદગી છે. માછલીને સામાન્ય રીતે માછલીની ટાંકીમાં રાખવાનું પસંદ કરવામાં આવે છે કારણ કેમાછલી સૌંદર્ય અને સંવાદિતાનું પ્રતીક છે. ગોલ્ડ ફેંગ શુઇ માછલીની એક સુંદર જોડીફ્લાવર હોર્ન માછલી ફ્લાવર હોર્ન ફિશ તેની અપાર સુંદરતા માટે ખરેખર જાણીતી છે અને માનવામાં આવે છે કે તે તેના માલિક માટે પુષ્કળ સારા નસીબ અને ઘણો પ્રેમ લાવે છે. માછલીની પ્રજાતિ સામાન્ય રીતે ઘરના વાતાવરણમાં ખુશનુમા વાતાવરણ બનાવવા અને ઘરના પરિવારના તમામ સભ્યોના સારા સ્વાસ્થ્ય માટે પસંદ કરવામાં આવે છે. ફ્લાવર હોર્ન હેંગ શુઇ માછલી બટરફ્લાય કોઈસુંદર ફેંગ શુઇ માછલીની સુપ્રસિદ્ધ તરવૈયા તરીકે ઓળખવામાં આવે છે અને તે પાણીના સૌથી મજબૂત પ્રવાહો સામે તરવામાં સક્ષમ છે. માછલી સિદ્ધિઓ, કારકિર્દીની સફળતા અને વિદ્યાર્થીઓ તેમજ કારકિર્દી બનાવનારાઓ માટે સારા નસીબનું પ્રતીક છે. બટરફ્લાય કોઈ ફેંગ શુઇ માછલીગપ્પી માછલી ગપ્પી માછલીમાછલીની ખૂબલોકપ્રિય જાતિ છે જેને સામાન્ય રીતે ફેંગ શુઇ માછલીની ટાંકીમાં રાખવામાં આવે છે, અનેમાછલીને જાળવવા માટે તેને વધુ જ્ઞાન અને કાળજીની જરૂર પડતી નથી. માછલી માટેની સરળ જરૂરિયાતો સ્વચ્છ તાજા પાણીની ટાંકી છે જે નિયમિતપણે સાફ કરવાની હોય છે, અને તમારેમાછલીની સુખાકારી માટે સંબંધિત તાજા પાણીની ટાંકીમાં બહુવિધ છોડ અને સબસ્ટ્રેટને પ્રાધાન્ય આપવું જોઈએ. માછલી ગ્રે, લાલ, વાદળી અને અન્ય ઘણા રંગો જેવા વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે. ગપ્પી સામાન્ય રીતે ખૂબશાંતિપૂર્ણ માછલીઓ હોય છે અને તમારા ઘરમાં આનંદી વાતાવરણ લાવે છે. ગપ્પી ફેંગ શુઇ માછલીપ્લેટી માછલી પ્લેટી ફિશ માછલી રાખનારાઓ માટે શ્રેષ્ઠ પસંદગી છે. માછલીની એક જાતિ છે